બબલૂના મોત બાદ રાનૂ તૂટી ગઈ હતી અને તે પશ્ચિમ બંગાળ પરત ફરી હતી. અહીં રાનૂ ગીતો ગાતી હતી. રાનૂના મધુર અવાજને કારણે લોકો તેને થોડાં પૈસા આપી દેતા હતા. હેવામાં આવી રહ્યું છે કે દસ વર્ષ સુધી આવું ચાલ્યું હતું. પરંતુ એક દિવસ રાનૂ રાણાઘાટ સ્ટેશન પર બેસીને ગીત ગાઈ રહી હતી ત્યારે સોફ્ટવેર એન્જીનિયર અતિન્દ્ર ચક્રવર્તી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાનૂનો અવાજ સાંભળીને તે રોકાયો હતો. તેણે પોતાના મોબાઇલમાં રાનૂનો અવાજ રેકોર્ડ કર્યો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા બાદ રાનૂ રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી. હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ માટે ગીત ગાવા માટે રાનૂને મોકો આપ્યો અને તેનો નસિબ ખુલી ગયું હતું. હાલમાં જ રાનું મંડળ તેનું જીવંત ઉદાહરણ બની રહીયું છે. રાનુ મંડળ એ પોતાનું આખું જીવન ગરીબમાં વિતાવ્યા પછી રેલવે સ્ટેશન ઉપર ગવાતા લતા મંગેશકર ના માત્ર એક ગીત દ્વારા જીવન પ્રકાશિત થઇ ઉઠ્યું છે. રિપોર્ટ મીડિયા અનુસાર, સલમાન ખાને રાનુ ને મુંબઈ શહેરમાં પંચાવન લાખનું ઘર ગિફ્ટ કરીયું છે. એટલું જ નહીં સલમાન ખાન રાનુના અવાજ થી એટલા પ્રભાવિત થયા છે કે તે તેની આ વાળી ફિલ્મ દબંગ ત્રણમાં તેની સાથે એક ગીતનું રેકોર્ડિંગ પણ કરશે. જોકે અત્યાર સુધીમાં સલમાન અને રાનું વિષયના આવા સમાચારો અન્ય સત્તાવાર સુત્રોમાંથી મળી રહ્યા નથી. હાલમાં આ વાતને લઇને કંઇ કહી શકાય નહીં. આ પહેલા સિંગર હિમેશ રેશમિયા પણ રાનુના ગીત થી પ્રભાવિત થયા હતા અને તેની સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીતમાં હિમેશની ફિલ્મ હેપી હાર્ડી અને હીર નો સમાવેશ કરવામાં આવ્યો છે. હીમેશે રાનુ સાથે આ ગીત રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ જોવાયેલ આ ગીત બની ગયું છે. તમને જણાવી દઇએ કે રાનું ફિલ્મ શોર નું ગીત 'એક પ્યાર કા નગમાં હૈ' ગાઈને ચર્ચામાં આવી હતી. આ ગીત થી રાનુ ને ખૂબ જ સારી લોકપ્રિયતા મળી હતી. રાનુ ગીત સાથે ખૂબ જ ફેમસ થઈ રહી હતી.